આનંદવન: પુત્રવધુ અપેક્ષાના મોઢે 'આનંદવન' શબ્દ સાંભળી જાનકીબેનના કાન વધુ સરવા થયા હતા. પુત્ર અખિલ અને પુત્રવધુ અપેક્ષા હમણાં-હમણાં ઘૂસપુસ કરતા હતા. અખિલ અપેક્ષાને કહેતો હતો "બાને હમણાં વાત નથી કરવી, ટાઇમે જ કહીશું.તું બધી તૈયારી કરી રાખજે. બાને ત્યાં કોઇ પણ જાતની તકલીફ ન પડવી જોઇએ." "તમે બધું મારી પર છોડી દ્યો, એક-એક વસ્તું યાદ કરીને લઇ લઇશ." "કેવો લાગ્યો મારો આઇડિયા?" "તારો આઇડિયા એટલે બાકી કહેવું પડે." 'આનંદવન' ભલેને ગમે તેટલું સુંદર હોય પણ અંતે તો તે ઘરડાઘર જ હતું. ઘરના બળ્યા-ઝળ્યા અને કુટુંબથી તરછોડેલા વૃદ્ધજનોનો સહારો હતો, જોતા વેંત જ ગમી જાય, ને ત્યાં રહેનાર વૃધ્ધોને સહેજ પણ તકલીફ ન પડે તેનું પૂરતું ધ્યાન રાખીને તેનું નિર્માણ થયું હતું. તેની સ્થાપના દિનેશભાઇએ કરી હતી. જાનકીબેનના પતિ બ્રીજેશભાઈ આર્કિટેક હતા. પાયાના ચણતરથી આશ્રમનું બાંધકામ પૂરું થાય ત્યાં સુધી બ્રીજેશભાઇ સતત સાથે રહ્યા હતા. તેઓ દિનેશભાઇના મિત્ર હતા. આનંદવનની આસપાસની આંખને ઠંડક આપે તેવી લીલોતરી જાનકીબેનને આભારી હતી. નાનપણથી જ જાનકીબેનને બાગાયનનો શોખ, અને સૂઝ પણ સારી. તેમના હાથ નીચે જ માળીએ એ આશ્રમને સુંદર ઓપ આપ્યો હતો. બે'ક વરસ પહેલા બ્રીજેશભાઈને હાર્ટએટેક આવેલ અને જીવલેણ નીવડ્યો. જાનકીબેન ત્યારથી સંસારથી અલિપ્ત થઇ ગયેલા. ઘરની કોઈ વાતમાં તે માથું મારતા નહીં. તેમને વાંચવાનો શોખ, તેથી આખો દિવસ પુસ્તકો વાંચતા. અને પૌત્ર અંશને વાર્તા કહેતા. આમ અલિપ્ત રહેવા છતાં પુત્ર અને પુત્રવધુને કઈ રીતે નડતા હતા તે જ તેમને ન સમજાયું. આજ સુધી તો અપેક્ષા પણ તેમનું માન રાખતી. તો શું એ બધો દંભ જ હતો? તેમનું મન ભારે થઈ ગયુ. પોતાની ક્યાં ચૂક થઈ તે જ તેમને ન સમજાયું. જાનકીબેન પહેલા પોળમાં રહેતા હતા, પણ પછી અખિલને સારી નોકરી મળતા તે વેચીને ટેનામેન્ટ લેવાનું નક્કી કર્યું. ટેનામેન્ટ અખિલના નામે લીધું, કારણ કે તેને બેંકમાંથી લોન લેવાની હતી. ઘણાંએ તે સમયે સલાહ આપી હતી કે મકાનમાં તમારું નામ પણ રાખો, પણ તે વખતે તેમને અખિલ અને અપેક્ષા પર પૂરો ભરોસો હતો. જાનકીબેન